તમે ચાક પાવડર અથવા સફેદ પેઇન્ટબ્રશ સાથે ડિઝાઇનની રૂપરેખા બનાવી શકો છો. તે ટકાઉ છે અને પેઇન્ટિંગ જેવો દેખાવ ધરાવે છે. રંગોળી ઝડપથી ખરી જતી નથી, તેથી જો તમે ફ્લોરને યોગ્ય રીતે સાફ કરવા માંગતા હો, તો તમારે તેને થોડા દિવસો સુધી પાણીથી લૂછવું જોઈએ. રંગીન પત્થરોઅમૂર્ત અને મોટી રંગોળીઓ માટે તે શ્રેષ્ઠ પસંદગી છે. તમે કાળજીપૂર્વક રંગીન પત્થરો ગોઠવી શકો છો, તમને ગમે તે ગમે છે અને સુંદર રંગોળી ડિઝાઇનનું પ્રદર્શન કરી શકો છો. તમારા ઘરમાં ઝેન વિસ્તાર તરીકે પણ કામ કરી શકે છે. અત્યાધુનિક સ્પર્શ આપવા માટે રંગોળીમાં પાણીના ટબ અથવા ફુવારો મૂકો. સરળ રંગોળી ડિઝાઇન ટિપ્સ રંગોળી હંમેશા સમતલ સપાટી પર દોરવી જોઈએ. ખાતરી કરો કે સપાટી શુષ્ક અને સ્વચ્છ છે. જો તમને તમારી શમતાઓ વિશે ખાતરી હોય તો સ્ટેનીસીલનો ઉપયોગ કરો. તમે કાગળના ટુકડાને શંકુમાં લપેટી શકો છો અને તમારી ડિઝાઇન બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છોતે સુઘડ ડિઝાઇન બનાવી શકે છે. જો રંગોળી ડોટેડહોય તો વિગતવાર ડિઝાઇન બનાવવા માટે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરો, જેમ કે સીડી, બોટલ કેપ્સ, આઈસ્ક્રીમની લાકડીઓ અને વધુ. મોલ્ડિંગ દરમિયાન તમે જે ભૂલો કરો છો તેને છુપાવવા માટે તમે વધારાના મુગ્ગુ પાવડરનો ઉપયોગ કરી શકો છો. જો તમે આરસ અથવા ટાઇલ્સ જેવી સફેદ સપાટી પર રંગોળી બનાવવા માંગતા હોવ તો ફ્લોર પર અર્ધપારદર્શક શીટ ચોંટાડો. તે તમને ડાઘ છોડ્યા વિના ઝડપથી રંગોળી બનાવવા અને દૂર કરવા દેશે. ટાઇલ્સમાંથી રંગોળી રંગને દૂર કરવા માટે પેટ્રોલિયમ જેલી અને ટુવાલનો ઉપયોગ કરો. સારાંશસરળ રંગોળી ડિઝાઇન 'રંગ' અને 'આવલી' શબ્દો, જેનો એકસાથે અર્થ 'રંગોની પંક્તિ' થાય છે, તે રંગોળી શબ્દની ઉત્પત્તિ છે. સામાન્ય રીતે રંગોળી ડિઝાઇન બનાવવા માટે રંગીન ચાક, ચોખાનો લોટ અને ચૂનાના છીણનો ઉપયોગ કરવામાં આવે છે. લોકોના વિસ્તારો, પરંપરાઓ અને સંસ્કૃતિઓના આધારે રંગોળીની ડિઝાઇન અને રંગો વ્યાપકપણે અલગ પડે છે. રંગોળીઓનો હેતુ ફક્ત તમારા ઘરની સજાવટના સૌંદર્ય શાસ્ત્રને વધારવાનો નથી, ખરાબી બહાર રાખવાનો પણ છે. તેથી, જો તમેતહેવારોની સિઝનમાં તમારા આંગણાને સુશોભિત કરવા અને સકારાત્મકતાને આમંત્રિત કરવા માંગતા હોવ તો આમાંથી કેટલીક સરળ રંગોળી ડિઝાઇન પસંદ કરો. તહેવારોની ઘર સજાવટના વિચારો યુગાદી શણગારના વિચારો દિયા શણગારના વિચારો સંગીત દિવસ શણગાર વિચારો મહેંદી ડે સજાવટના વિચારો ગૃહ પ્રવેશ સુશોભન વિચારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ ડેકોરેશન નવરાત્રી સજાવટના વિચારો ગુડી પડવા તહેવાર દરમિયાન તમારા ઘરને સજાવો ગણપતિ ફ્લાવર ડેકોરેશન આઈડિયાઝ વાસ્તુ હોલના રંગોતમારા લિવિંગ રૂમ માટે શેડ્સ વાસ્તુ મુજબ હોલના રંગોનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં સૌભાગ્ય અને